કન્યા સાપ્તાહિક રાશિફળ કોઈપણ પોલિસી વગેરેમાં રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવી લો. ખરાબ નિર્ણયોથી પાછળથી પસ્તાવો થઈ શકે છે. વ્યવસાયિક યોજનાઓ સફળ થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખો. ઘૂંટણ અને પગના દુખાવાની સમસ્યા થઈ શકે છે. વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ ગણેશજી કહે છે કે જો પ્રોપર્ટીની ખરીદી-વેચાણને લગતી કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય, તો તેનું કામ આ અઠવાડિયે આગળ વધી શકે છે. પરિવારમાં ધાર્મિક આયોજન થઈ શકે છે. ઘરની જાળવણીના કામમાં પણ સમય પસાર થશે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે, જેના કારણે તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ મુલતવી રાખવા પડી શકે છે. તમારા વિચારો સકારાત્મક રાખો અને તણાવથી દૂર રહો. આ અઠવાડિયે ધંધાકીય કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. કોઈ વાહનને કારણે ઈજા થવાની સંભાવના હોવાથી સાવચેતી રાખો. ધન સાપ્તાહિક રાશિફળ ગણેશજી કહે છે કે કોઈપણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ જાળવી રાખવો એ તમારી વિશેષતા છે. આ સમયે તમને નસીબ કરતાં પોતાના કર્મ પર વધુ વિશ્વાસ છે. કર્મ કરતા રહો, ભાગ્ય પણ ધીમે ધીમે તમારો સાથ આપવાનું શરૂ કરશે. બાળકોનું આત્મસન્માન ઘટી શકે છે, તેથી માતા-પિતાએ બાળકો સાથે થોડો સમય વિતાવવો જરૂરી છે. વેપાર ક્ષેત્રે સહયોગીઓ અને કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. વર્તમાન વાતાવરણને કારણે પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. મકર સાપ્તાહિક રાશિફળ ગણેશજી કહે છે કે તમે થોડા સમય પહેલાં જે લક્ષ્યો નક્કી કર્યા હતા, તેના પર કામ કરવા માટે આ અઠવાડિયું ઉત્તમ સમય છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. નજીકના મિત્ર અથવા સંબંધી સાથે મતભેદ થઈ શકે છે. મુસાફરી કરતા પહેલાં સાવચેત રહો. મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. પારિવારિક વાતાવરણ સારી રીતે જળવાઈ રહેશે. ઉધરસની સમસ્યા થઈ શકે છે. કુંભ સાપ્તાહિક રાશિફળ ગણેશજી કહે છે કે આ અઠવાડિયે તમે જે લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેનું પરિણામ મળી શકે છે. તમારું મનોબળ અને આત્મવિશ્વાસ પણ મજબૂત રહેશે. પ્રભાવશાળી લોકો સાથે સારા સંપર્કો સ્થાપિત થઈ શકે છે. આર્થિક ગતિવિધિઓમાં મંદીના કારણે થોડી ચિંતા રહી શકે છે, પરંતુ આ સ્થિતિ કાયમી નથી. તેથી વધારે ચિંતા કરવાની જરૂર નથી. સ્વભાવમાં નકારાત્મકતા લાવવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપવાની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિને કારણે જે વ્યવસાયિક ગતિવિધિઓ અત્યાર સુધી ધીમી પડી હતી, તેમાં હવે સુધારો થઈ શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. વરાળથી એલર્જી થઈ શકે છે. મીન સાપ્તાહિક રાશિફળ ગણેશજી કહે છે કે આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. મનમાં નવી યોજનાઓ આવશે અને નજીકના સંબંધીઓની મદદથી તે યોજનાઓ શરૂ કરવામાં સફળતા પણ મળશે. લગ્ન સંબંધિત પરિવારના કોઈ વ્યક્તિ માટે ખરીદી...